મારા ઘરના ઘણા પુસ્તકો અને કેટલાક ચિત્રો અને મીણબત્તીઓ. તે એક લાંબી બુકશેલ્ફ છે. તેમાં મોટા અને નાના પુસ્તકો છે. બાળકો માટે પુસ્તકો અને માતાપિતા માટે પુસ્તકો પણ છે. મારા માતા અને પિતાનું ચિત્ર છે. ત્યાં બે વાદળી મીણબત્તીઓ અને પીળી મીણબત્તી છે. મને આનંદ છે કે મને ગમતી પુસ્તકો સૌથી નીચા શેલ્ફ પર છે. મારી પાસે બિલાડી છે. તેમાં પીળો બોલ છે. તે બોલ ચાવવાનું પસંદ કરે છે. મારી પાસે એક કૂતરો પણ છે. મારો કૂતરો અને મારી બિલાડી સારા મિત્રો છે. તેઓ એકબીજાને પસંદ કરે છે. મારા કૂતરા પાસે વાદળી બોલ છે. બંનેને રમવાનું પસંદ છે. તેઓ દડા પાછળ દોડે છે અને મારી પાસે લાવે છે. મારી બિલાડીમાં બિલાડીના બચ્ચાં છે. તેઓ પણ બોલ સાથે રમવાનું પસંદ કરે છે. તેઓ પણ બોલ સાથે રમવાનું પસંદ કરે છે. મારે બીજા બોલની જરૂર છે. જોકે મૂર્ખતાને સામાન્ય રીતે 'સામાન્ય બુદ્ધિનો અભાવ' તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, મૂર્ખ વર્તન એ બુદ્ધિમાં અભાવ ધરાવતા વ્યક્તિની વર્તણૂક નથી, પરંતુ સારા નિર્ણય અથવા સમજનો ઉપયોગ ન કરતી વ્યક્તિની વર્તણૂક છે. હકીકતમાં, મૂર્ખતા એ લેટિન શબ્દથી આવે છે જેનો અર્થ થાય છે 'સંવેદનહીન'. તેથી, મૂર્ખતાને સામાન્ય બુદ્ધિવાળા વ્યક્તિની વર્તણૂક તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે જે કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં કામ કરે છે જાણે કે તે ખૂબ તેજસ્વી નથી. મૂર્ખતા ગંભીરતાના ત્રણ સ્તરે અસ્તિત્વમાં છે. મને આશ્ચર્ય થતું હતું કે સ્ટેશનની દિવાલો પાછળ દેવળીમાં શું થયું છે. હું હંમેશાં તે એકલા નાના પ્લેટફોર્મ માટે, અને જે સ્થળની મુલાકાત લેવા ઇચ્છતો નથી તેના માટે દિલગીર છું. મેં નક્કી કર્યું છે કે એક દિવસ હું દેવળીથી ટ્રેનમાંથી ઉતરીશ, અને તે દિવસને ત્યાં જ પસાર કરીશ, ફક્ત શહેરને ખુશ કરવા માટે. અમે અમારી જરૂરિયાતો માટે તમામ કાપડ બનાવવાની સ્થિતિમાં ન હતા. તેથી વિકલ્પ એ હતો કે હેન્ડલૂમ વણકરો પાસેથી અમારા કાપડનો પુરવઠો મેળવવો. પરંતુ ભારતીય મિલમાંથી તૈયાર કાપડ કાપડ વિક્રેતાઓ પાસેથી અથવા પોતાને વણકર પાસેથી સરળતાથી મળી શકતું ન હતું. વણકર દ્વારા પહેરવામાં આવેલું તમામ સરસ કાપડ વિદેશી યાર્નનું હતું, કારણ કે ભારતીય મિલો દંડ ગણતરીમાં નથી ફરતી. સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્રો પણ, તેમની સંપત્તિ અને લશ્કરી શક્તિ હોવા છતાં, વર્ચુઅલ શત્રુઓથી ડરતા હોય છે અને તેઓ ડર સંકુલ સાથે જીવે છે. આર્થિક સમૃદ્ધિ અને લશ્કરી તાકાત, એકલા જ કોઈપણ રાષ્ટ્રમાં શાંતિ લાવતું નથી, કારણ કે આપણે વિશ્વની ગતિશીલતામાંથી જોઈએ છીએ. આવી સ્થિતિમાં આપણી ધાર્મિક દળોને આધ્યાત્મિક દળોમાં પરિવર્તન કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આર્થિક સમૃદ્ધિ અને લશ્કરી શક્તિ ઉપરાંત આધ્યાત્મિક શક્તિઓના વિકાસથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળશે. એ હકીકત હોવા છતાં કે તેમાં હજી પણ પ્રમાણમાં ઓછા વ્યવસાયિક કાર્યક્રમો છે, નેનો ટેકનોલોજીએ પર્યાવરણીય જૂથો અને અન્ય લોકોની આલોચના કરી છે જેમને માનવ આરોગ્ય અને પર્યાવરણ માટે હજી સુધી અજાણ્યા જોખમોનો ભય છે. વિવેચકોએ સંશોધન પર સ્થાયી થવા માટે હાકલ કરી છે, એવી દલીલ કરી હતી કે આપણે નેનોપાર્ટિકલ્સના ઝેરી અસર